તેના લેન્ડર અને રોવરની વાત કરીએ તો, તેમનું વજન આશરે એક હજાર સાતસો બાવન કિલોગ્રામ હતું. ચંદ્રયાન-થ્રી પોતાની સાથે એક લેન્ડર લઈને ગયું હતું, જે ચંદ્રની દક્ષિણ સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. લેન્ડિંગ પછી, તેમાંથી એક રોવર બહાર આવવાનું હતું, જે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. એચડી કેમેરા સિવાય રોવર પર અન્ય ઘણા વૈજ્ઞાનિક ઉપકરણો પણ લગાવવામાં આવ્યા હતા. આ રોવર લગભગ ચૌદ દિવસ સુધી કામ કરી શકે તેમ હતું. જો તેને પૂરતો સૂર્યપ્રકાશ મળતો રહે, તો તે વધુ સમય સુધી કામ કરવાની ક્ષમતા પણ ધરાવતું હતું. સ્મૃતિ ઈરાનીનું લોકસભામાં નિવેદન તેમના આરોપોના જવાબમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વળતો પ્રહાર કર્યો હતો. લોકસભામાં બોલતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સંસદ ભવનમાંથી જતા સમયે અભદ્ર ઈશારો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવું વર્તન મહિલા વિરોધી વ્યક્તિ જ કરી શકે, જે સંસદમાં મહિલા સભ્યોની હાજરીમાં ફ્લાઈંગ કિસ આપી શકે. સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે આવું ગરિમા વિહીન આચરણ દેશની સંસદમાં ક્યારેય જોવા મળ્યું નથી. સ્મૃતિ ઈરાનીના ભાષણની કેટલીક મુખ્ય વાતો સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે જેઓ “ભારત માતાની હત્યા”ની વાત કરે છે, તેઓ ક્યારેય ટેબલ ન પછાડે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના સભ્યો “ભારત માતાની હત્યા”ની વાત પર ટેબલ થપથપાવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મણિપુર ભારતનું અભિન્ન અંગ છે. તે વિભાજિત ન હતું, નથી અને ક્યારેય થશે નહીં. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે આજે ગૃહમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો તેમને તક મળે તો તેઓ કલમ ત્રણસો સિત્તેર પુનઃસ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે કલમ ત્રણસો સિત્તેર પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં અને કાશ્મીરી પંડિતોને “રાલિબ, ગાલિબ, ચાલીબ”ની ધમકી આપનારાઓને પણ બક્ષવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વારંવાર કહ્યું છે કે સરકાર મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.